એનડીડી: મારું નામ નોરીઆ ડેમ્બ્રીન ડુસાબીરેમે છે. હું વ્યવસાયમાં સાંદ્રતા સાથે સંદેશાવ્યવહારમાં આર્ટસ. બેચલર કરી રહી છું સીઆર: અમે પાંચ જુદા જુદા દેશોમાં વિદ્યાર્થીઓને સેવા આપી રહ્યા છીએ: લેબનોન, કેન્યા, માલાવી, રવાંડા અને દક્ષિણ આફ્રિકા. એ. ગ્રેડ હોવાનો ખરેખર ગર્વ છે અને લગભગ એક હજાર વિદ્યાર્થીઓ હમણાં નોંધાયેલ છે. તો, જાદુ એ છે કે આપણે શરણાર્થીના જીવનને અસ્તિત્વમાં હોવાથી સંબોધિત કરી રહ્યાં છીએ. ત્યાં કોઈ વર્ગો નથી. ત્યાં કોઈ પ્રવચનો નથી. કોઈ નિયત તારીખ નથી. ત્યાં કોઈ અંતિમ પરીક્ષાઓ નથી. આ ડિગ્રી યોગ્યતા આધારિત છે અને સમય-આધારિત નહીં. જ્યારે પ્રોજેક્ટ શરૂ કરો છો ત્યારે તમે પસંદ કરો છો. તમે પસંદ કરો છો કે કેવી રીતે તેનો સંપર્ક કરી શકો છો. એનડીડી: જ્યારે તમે માર્ગો શોધો છો, ત્યાં તમે લક્ષ્યો જોઈ શકો છો. દરેક લક્ષ્ય હેઠળ, આપણે પ્રોજેક્ટ્સ શોધી શકીએ છીએ. જ્યારે તમે કોઈ પ્રોજેક્ટ ખોલો છો, તમે કુશળતા મેળવો છો કે તમારે માસ્ટર કરવું પડશે, દિશાઓ અને પ્રોજેક્ટની ઝાંખી. સીઆર: એસએનએચયુની ગુપ્ત ચટણી તે યોગ્યતા આધારિત ઓનલાઇન શિક્ષણને સંયોજિત કરી રહ્યું છે વ્યક્તિગત શિક્ષણ સાથે જે આપણે ભાગીદારો સાથે કરીએ છીએ દરેક રીતે આધાર પૂરો પાડવા માટે. તેમાં શૈક્ષણિક કોચિંગ શામેલ છે. એનડીડી: હું સોશિયલ મીડિયા મેનેજમેન્ટ ઇન્ટર્ન છું તે હું જે માહિતીસંચાર ડિગ્રી કરી રહ્યો છું તેનાથી સંબંધિત છે. મેં ઘણી બધી વસ્તુઓ શીખી છે પ્રોજેક્ટની બહાર અને વાસ્તવિક દુનિયામાં. સીઆર: સ્ટ્રક્ચર્ડ ઇન્ટર્નશિપ ખરેખર એક તક છે વિદ્યાર્થીઓ માટે તેમની કુશળતા પ્રેક્ટિસ કરવા, આપણા માટે ઇન્ટરશિપ વચ્ચે જોડાણો બનાવવા માટે અને પછીની નોકરીની તક. આ એક મોડેલ છે જે ખરેખર સમય મૂકવાનું બંધ કરે છે અને યુનિવર્સિટી નીતિઓ અને કેન્દ્રમાં કાર્યવાહી અને તેના બદલે વિદ્યાર્થીને કેન્દ્રમાં મૂકે છે. આઇએમ: એસએનએચયુ મોડેલ વૃક્ષને હલાવવાનો એક મોટો રસ્તો છે. વિશાળ. અહીં તૃતીય વર્ગનું શિક્ષણ મેળવવાની પરંપરાગત રીતને જોરદાર હચમચાવી છે. બીડીવાય: તે વિદ્યાર્થીઓના જીવનમાં પરિવર્તન લાવી શકે છે આ સંવેદનશીલ અને શરણાર્થી સમુદાયોમાંથી. એનડીડી: જો મને ડિગ્રી મળે, હું હમણાં જ પાછા આવીને કામ કરી શકું છું હું ઇચ્છું છું તે બધે હું વિશ્વાસપૂર્વક અંગ્રેજીમાં માસ્ટર્સ માટે જઇ શકું છું, જે એવું કંઈક છે જેની મેં પહેલાં કલ્પના પણ ન કરી હતી. અને મારી પાસે આત્મવિશ્વાસ અને જરૂરી કુશળતા છે ખરેખર બહાર જવા અને કાર્યસ્થળને હલ કરવા માટે ડર્યા વિના કે હું તેને બનાવી શકતી નથી. એસએએસ: હું હંમેશા સમુદાય સાથે કામ કરવા માંગુ છું. હું બિન-લાભકારી સ્થાપિત કરવા માંગું છું. અમે મહિલાઓના શિક્ષણની હિમાયત કરીએ છીએ.